તમે એક એવું ઘર બનાવી શકો છો જે પ્રેમને ઉત્તેજિત કરે છે, સારા નસીબને આવકારે છે અને ભક્તિ અને ધ્યાન સાથે તમારા સફળતાના માર્ગને ટેકો આપે છે. અમે આશા રાખીએ છીએ કેફેંગ શુઇ હોમ ડેકોર ટિપ્સ તમારા જીવનમાં ખુશી અને સકારાત્મકતા લાવવામાં મદદ કરશે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજા હાઉસ અને લેટેસ્ટ અપડેટ્સ અમે તમને યુવા ક્રિકેટ સ્ટાર રવિન્દ્ર જાડેજાના ઘરની વર્ચ્યુઅલ ટૂર પર લઈ જઈએ છીએ. તે ગુજરાતમાં એક સુંદર ચાર માળનું વિન્ટેજ ઘર છે. વૈભવી નિવાસસ્થાનમાં એક ઝલક જુઓ. અશ્વિનની કલાત્મકતા તેના કરતા વધારે પડતી હતી, જાડેજાએ તેના વરિષ્ઠ સાથીદારને તેના અંગૂઠા પર રાખ્યો હતો અને જ્યારે સંજોગોએ ભારતને માત્ર એક સ્પિનર સાથે રમવાની મંજૂરી આપી ત્યારે તે વારંવાર શો ચોરી લેવામાં સફળ રહ્યો હતો. તે એક કેપ્ટનનું સ્વપ્ન હતુંનિઃશંકપણે ગ્રાઉન્ડ પરનો સૌથી ઝડપી માણસ અને તેના કાર્યકાળ દરમિયાન શ્રેષ્ઠ ફિલ્ડર, તે નીચલા ક્રમનો આવશ્યક બેટર બન્યો. પરંતુ શું તમે જાણો છો કેબધી સિદ્ધિઓ સિવાય રવિન્દ્ર જાડેજાને સુંદરતા પ્રત્યે પણ એક નજર હતી અને ગુજરાતમાં તેમનું ચાર માળનું વિન્ટેજ હોમ આનો પુરાવો છે?